રંગોનું બોલ્ડ મિશ્રણ તમારા બેડરૂમના આંતરિક ભાગને ઉત્થાન આપશે, તેને આરામ કરવા માટે એક યોગ્ય સ્થળ બનાવે છે. બેડરૂમની દિવાલો માટે પેટર્નવાળી ઓરેન્જ કલર કોમ્બિનેશન. જો તમે એવા વ્યક્તિ છો કે જે તમારા બેડરૂમની દિવાલો પર નારંગી રંગનો ઉપયોગ કરવામાં અચકાતા હોય, તો તમે જીવંત સ્પર્શ ઉમેરવા માટે નારંગી રંગની પેટર્નનો ઉપયોગ કરી શકો છો. તમે તમારા બેડરૂમની એક દિવાલમાં એક અનોખી નારંગી પેટર્ન ઉમેરી શકો છો, અન્યને સાદી રાખીને. તમારા બેડરૂમ માટે નારંગી પેટર્નવાળી બેડરૂમની દિવાલો માટે બ્લેક અને ઓરેન્જ બે કલર કોમ્બિનેશન જો તમે સ્ટીરિયોટાઇપને તોડવા માંગતા હો, તો તમારે તમારા બેડરૂમના રંગ સંયોજનો સાથે પ્રાયોગિક બનવું પડશે. તમે તમારા બેડરૂમની દિવાલો માટે કાળા અને નારંગી રંગના સંયોજનને પસંદ કરી શકો છો, જેમાં કાળો મુખ્ય રંગ છે. સંયોજન સુંદર રીતે તમારા રૂમની એકવિધતાને તોડે છે અને તેને વધુ સુંદર બનાવે છે. તમારા બેડરૂમ માટે કાળા અને નારંગીનું અનોખું સંયોજન કરી શકાય. બેડરૂમની દિવાલો માટે સફેદ અને નારંગી બે રંગનું સંયોજન કરી શકાય. જો તમે તમારા બેડરૂમમાં સુંદરતા સાથે સ્ત્રીની છાપ ઉભી કરવા માંગો છો, તો તમે સદાબહાર સફેદ અને નારંગી રંગના સંયોજન માટે જઈ શકો છો. યોગ્ય દેખાવ મેળવવા માટે તમે સફેદ દિવાલોને સાદી રાખીને, તેમાં દિવાલમાં નારંગી પેટર્નની ડિઝાઇન પણ ઉમેરી શકો છો. નારંગી પેટર્નના સ્પર્શ સાથે સ્ત્રીનું બેડરૂમ દેખાવડો બને છે. બેડરૂમની દિવાલો માટે વુડ અને ઓરેન્જ બે કલર કોમ્બિનેશન. લાકડું અને નારંગીનું આશીર્વાદિત સંયોજન ક્યારેય ખોટું થઈ શકે નહિ, જો તમે તેને યોગ્ય રીતે સ્ટાઈલ કરો અને લાકડાના આદર્શ શેડનો ઉપયોગ કરો. જો તમે લાકડું અને નારંગી રંગનું બે રંગનું મિશ્રણ પસંદ કરો તો તમારો બેડરૂમ એક ભવ્ય છતાં આધુનિક જગ્યામાં ફેરવાઈ જશે. લાકડાના ટોન સાથે તેજસ્વી નારંગી દિવાલ, બેડરૂમની દિવાલો માટે ક્રીમ અને ઓરેન્જ બે કલર કોમ્બિનેશન. તે સુમેળપૂર્ણ અને સંતુલિત દેખાવ પ્રાપ્ત કરવા માટે, ક્રીમ એક રંગ છે જે તમારા બેડરૂમની દિવાલો પર નારંગી સાથે જોડી શકાય છે. ક્રીમ તમારા બેડરૂમની તેજસ્વી નારંગી દિવાલોને ટોન કરવા અને સંપૂર્ણતા સાથે પૂરક બનાવવા માટે એક